લાલ રંગ ઘણીવાર જીવન, આરોગ્ય, જોમ, ઊર્જા, હિંમત અને પ્રેમ સાથે સંકળાયેલું હોય છે. અને જ્યારે તેને નેવી-બ્લુ કલર સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે તેની અસર ખૂબસૂરત હોય છે. અભ્યાસ ખંડમાં, દાખલા તરીકે, લાલ અને નેવી-બ્લુ રંગો ઉચ્ચારની દિવાલને આકર્ષક બનાવે છે. આકર્ષક ફ્લોટિંગ છાજલીઓ અને શેરડીની દિવાલ ઉચ્ચારણ ધરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ઉમેરો કરે છે. થોડા પોટેડ ગ્રીન્સ આવા રૂમમાં ઘણું જીવન ઉમેરી શકે છે. નેવી બ્લુ કલર અને લાઈટ વુડન શેડ્સ નેવી બ્લુ કલર અને લાઈટ વુડન શેડ્સ એકસાથે ખૂબસારી રીતે જાય છે છબી સ્ત્રોત. હળવા લાકડાના શેડ્સ, તે ફ્લોર પર હોય કે રાચરલીચું, ગરમ દેખાય છે અને અનન્ય આકર્ષક ધરાવે છે. દાખલા તરીકે,વિશાળ અને તેજસ્વી બેડરૂમમાં, શેવરોન પેટર્ન સાથે હળવા રંગના લાકડાનું ફર્નિશ ફિનિશ ફ્લોર અને સ્ટાઇલિશ સ્ટે સ્ટેટમેન્ટ બનાવે છે. અને તે સમૃદ્ધ નેવી-બ્લ્યુ વોલ ક્લેડીંગ સાથે જોડાયેલ હોવાથી, ઓરડો રસપ્રદ અને વ્યક્તિત્વથી ભરેલો લાગે છે. કેવી રીતે ડ્રેપ્સ ફ્લોરને પૂરક બનાવે છે તે ચૂકશો નહીં અને પેન્ડન્ટ લેમ્પ્સ દિવાલ ક્લેડીંગને જાઝ કરે છે. અન્ય ઘણા લોકો સાથે નેવી-બ્લુ કલરના પોપ્સને-બ્લુ કલરના પોપ્સ લાલ, પીળા અને લીલા રંગના શેડ્સ સાથે સારી રીતે જઈ શકે છે છબી સ્ત્રોત. નેવી બ અ બ્લુરંગ છે જે મોટાભાગના શેડ્સ સાથે સારી રીતે જઈ શકે છે, પછી ભલે તે તેજસ્વી હોય કે મ્યૂટ. તેથી, જો તમને આખી દિવાલ નેવી-બ્લુ રંગમાં રંગવાની કે નેવી-બ્લુ પલંગ મેળવવાની ખાતરીહોય તો તમે તેનો ઉપયોગ સંયમિત રીતે પણ કરી શકો છો. તે માત્ર પોપ્સ પણ કરશે. ઉપરની છબીમાં, તમે જોઈ શકો છો કે લેમ્પ સ્ટેન્ડ, કોફી ટેબલ અને ગાદલા પર કેવી રીતે નેવી-બ્લુ દેખાય છે, પરંતુ જબરજસ્ત રીતે નહીં. કુશન અને ગાદલા પર લાલ અને પીળા રંગના પોપ્સ અહીં આકર્ષક દેખાવ બનાવે છે. ખૂણામાં જીવંત લીલા પોટેડ છોડ પણ રંગ મિશ્રણમાં ઉમેરો કરે છે. આછો ગુલાબી અને નેવી બ્લુની લાવણ્ય નેવી બ્લુ અને આછા ગુલાબી રંગનું મિશ્રણ ઉત્સાહ અને ગ્લેમની ભાવનાને ઇન્જેક્ટ કરે છે. લિવિંગ રૂમના આંતરિક ભાગના નેવી બ્લુ વાઇબ્રન્સ અને આછા ગુલાબી રંગનો ઉત્સાહ લક્ઝરી ગેમ રમે છે. આછા ગુલાબી આર્મચેર અને વાદળી વેલ્વેટ અપહોલ્ટ્રીમાં લાકડાની બેન્ચ સાથે પૂરક બનેલી સૂક્ષ્મ ગ્રે દિવાલ,રૂમમાં સંપૂર્ણ સેટિંગ બનાવે છે. વધુમાં, નેવી બ્લુ, પિંક અને વાઇલ વ્હાઇટ કલર કોમ્બિનેશનમાં વિન્ડો કર્ટેન્સ ઇંચ ઇન્ફ્યુઝ્ડ રંગોની ગ્રેસના અપગ્રેડ કરે છે. ખૂણામાં એક કાચની ટોચ અને અદભૂત કાચની ફૂલદાની સાથેનું ટેબલ એક ઉત્તમ સ્ટેટમેન્ટ પીસ બનાવે છે અને દિવાલ પરની ડાર્ક પેઇન્ટિંગ એકદમ અસ્પષ્ટ લાગે છે. તમારા ઘરમાં ઉમેરવા માટે શ્રેષ્ઠ